તમારા વિસ્તારમાં અનન્ય પાત્ર અને રંગનો આડંબર ઉમેરવા માટે એક શ્રેષ્ઠ ટીપ્સ છે. તમારા પેશિયોની સજાવટને વધારવા માટે વિચિત્ર એક્સેસરીઝ અને ફર્નિચર વસ્તુઓનો ઉપયોગ કરો. ફોકલ પોઈન્ટ તરીકે ફાયર પીટ ઉમેરો .આગના ખાડાઓ તમારા આઉટડોર સરંજામમાં એક ઉત્તમ ઉમેરો છે ખાસ કરીને જો તે મોટો વિસ્તાર હોય. તે માત્ર જગ્યામાં થોડો કુદરતી પ્રકાશ ઉમેરે છે પરંતુ તે ઠંડા શિયાળાના દિવસોમાં હૂંફ પણ પ્રદાન કરે છે. વિઝ્યુઅલ સ્ટેટમેન્ટ બનાવવા માટે તમે સ્ટીલી સિલ્વર ફાયર બાઉલ પસંદ કરી શકો છો. તમે તમારા બેસવાની જગ્યામાં સોફ્ટ કુશન અને ગરમ ફાનસ લાઇટ્સ ઉમેરીને વિસ્તારના દેખાવને વધુ વધારી શકો છો. પેશિયોમાં આગનો ખાડો આઉટડોર સજાવટમાં એક મજબૂત કેન્દ્રબિંદુ બનાવે છે. જો તમારી પાસે મોટું બજેટ હોય તો પણ તમે તમારા પેશિયોને એક સુખદ નવનિર્માણ આપી શકો છો. તમારી જગ્યાને સસ્તું અપડેટ કરવા માટે અહીં કેટલીક ઝડપી ટીપ્સ આપી છે. તમારી જૂની ઘરની વસ્તુઓને અપસ્કેલ કરો. નવી આઉટડોર ડેકોર વસ્તુઓ બનાવવા માટે તમારા જૂના અને ઘસાઈ ગયેલા ઘરના ઉત્પાદનોને અપસ્કેલ કરો. દાખલા તરીકે, તમે સુંદર પ્લાન્ટ સ્ટેન્ડ બનાવવા માટે કારના ટાયરનો ઉપયોગ કરી શકો છો અથવા રૂપાંતરિત કરી શકો છો અથવા સાઇડ ટેબલ બનાવવા માટે જૂની પાઉફ બનાવી શકો છો. તમારા જૂના ફર્નિચરને સુધારવું તમે વાઇબ્રન્ટ ગાર્ડન ફર્નિચર બનાવવા માટે તમારા જૂના અને ઘસાઈ ગયેલા ઘરના ફર્નિચરને પેઇન્ટ કરી શકો છો. તમારા પેશિયો પર તેનો ઉપયોગ કરવા માટે તમારા ઇન્ડોર ફર્નિચરની અપહોલ્સ્ટરી બદલવાનું વિચારો. પૂર્વ ગમતું ફર્નિચર ખરીદો. નવી વસ્તુઓ ખરીદવા કરતાં હંમેશા વધુ આર્થિક હોય છે. એક સરળ પેશિયો ફર્નિચર સેટ શોધવાનો પ્રયાસ કરો જે બહુમુખી છે અને લાંબા સમય સુધી ચાલશે. કેટલાક પ્રોજેક્ટ્સ અજમાવી જુઓ. પેશિયોની સજાવટ વધુ પડતી જટિલ હોવી જરૂરી નથી. તમે કેટલીક પ્રવૃત્તિઓને અજમાવી શકો છો જેમ કે વળાંકવાળી ઇંટોમાંથી આગનો ખાડો બનાવવો અથવા તમારા બેકયાર્ડ વિસ્તારને સુધારવા માટે તમારી જૂની ધાતુની ખુરશીઓને રંગવા. આઉટડોર સજાવટ માટે નિષ્કર્ષ આઉટડોર સરંજામએક મનોરંજક અને ઉત્તેજક પ્રવૃત્તિ છે જે તમે ઘણીવાર તમારા પોતાના પર કરી શકો છો. તમારી જગ્યાને અદભૂત નવનિર્માણ આપવા માટે ઉપરોક્ત ટીપ્સનો ઉપયોગ કરો. વસ્તુઓ શક્ય તેટલી સરળ અને કુદરતી રાખવાની ખાતરી કરો. તમારા માટે દરરોજ આરામ કરવા માટે શાંત જગ્યા બનાવવામાં મદદ કરશે. ગાર્ડન ડેકોર ટિપ્સ તમારા ઘરના આઉટડોર ગાર્ડન માટે. ગાર્ડન લાઇટિંગ સાથે તમારા બગીચાને પ્રકાશિત કરો. તમારા બગીચાની જગ્યાને સુંદર બનાવવા માટે ટોચના ફ્રન્ટ ગાર્ડન વિચારોને અજમાવો. ઇન્ડોર ગાર્ડન ડેકોર ટિપ્સ. તમારા ઘરમાં હરિયાળી ઉમેરવા ગાર્ડન ફર્નિચર વિચારો જે શૈલીમાં છે.